હાઇવે પર નવા મોડેલની મોંઘી મોટરકાર દોડી રહી છે. એમાં એક યુગલ છે. સ્વસ્થ, સુખી દેખાતું નિવૃત્તિ વયે પહોંચેલું યુગલ. શ્રીમાન ડ્રાઈવરસીટ પર, શ્રીમતી બાજુની સીટ શોભાવી રહ્યાં છે. લગભગ અઢી-ત્રણ કલાકનો પ્રવાસ કરવાનો છે. સવારનો સમય, મોટરકારની મ્યુઝિક સિસ્ટમ વીત્યા વર્ષોનાં મધુર ગીતો વગાડી રહી છે. 'લે કે હાથોમેં હાથ ચલે સાથ-સાથ,' મોટર સડસડાટ દોડી રહી છે. "વચ્ચે ક્યાંક ચાનાસ્તો કરી લઈશું ને?" એકનો સવાલ. "હા કંક નાસ્તો કરી જ લઈએ. આગળ કશું મળે ન મળે." બીજાનો જવાબ. "ને ત્યાંય કોને ખબર, ખાવાનું મળે કે નયે મળે. તમારા વડીલ છે. એમનું કામ એવું." "એમની ઉમર થઈ હવે નથી કરી શકતાં." "કરી શકતાં'તાં ત્યારે ય ક્યાં" "ના હોં, સાવ એવું નહોતું." "જવા દો ને એ વાત, મૂડ નથી બગડવા દેવો. લો આ 'નૂતન' આવી ગયું." મોટર ડાબી બાજુએ રસ્તા પર વળી અને 'નૂતન નાસ્તા હાઉસ' સામે રોકાઈ ગઈ. આ બે પ્રવાસીઓ વારંવાર આ રસ્તે આવતાં હતા. 'નૂતન' વાળા ભાઈઓ એમને ઓળખતા હતા. "ભીડ હશે, પહેલાં પૂછી જુઓ. જગ્યા હોય તો જઈએ." જગ્યા હતી. મોટર પાર્ક થઈ. બન્ને 'નૂતન' માં પ્રવેશ્યા. 'નૂતન' ના ગલ્લે બેઠેલા યુવાને આવકાર આપ્યો. ટેબલ પણ મળી ગયું. પ્રવાસી યુગલે ઈડલી સંભારનો ઓર્ડર આપ્યો સાથે લિમ્કા અને થમ્સઅપ. બ્રેકફાસ્ટનો સમય હતો. તાજા બનાવેલાં ઈડલી સંભાર સ્વાદિષ્ટ હતા. મજા આવી. નાસ્તો કરીને પૈસા ચૂકવીને, નવી ગાડી માટે ગલ્લે બેઠેલા યુવાનના અભિનંદન લઈને પ્રવાસ આગળ વધ્યો. "સુહાના સફર ઔર યે મૌસમ હસીન" એક પછી એક સુમધુર ફિલ્મી ગીતો વાગી રહ્યા છે. મોટર થોડી આગળ ચાલી. "ઓહ માય ગોડ, મારા ચશ્મા ત્યાં રહી ગયાં." "એવું કેવી રીતે થયું?" "મેન્યુકાર્ડ જોવા વાંચવાના ચશ્મા કાઢ્યા, જોવાના બાજુમાં મૂક્યા'તા, પછી લેવાના રહી ગયાં." "દર વખતે ઇડલી સંભાર જ ખાવાના હોય એમાં મેન્યુકાર્ડ શું કામ જોવું પડે?" "જોવું પડે. ભાવ વાંચવા પડે. આ વખતે છાપેલું મેન્યુકાર્ડ હતું. દર વખતે હાથે લખેલું હોય છે." ચશ્મા ભૂલનાર પ્રવાસી પોતે મેન્યુકાર્ડ વાંચ્યું હોવાનો પુરાવો આપ્યો. "હવે ચાલો પાછા, ચશ્મા લઇ આવીએ." "પાછા જવાનું?" "કેટલી વાર કહ્યું. બાયફોકલ ચશ્મા પહેરતા હો તો?" "નથી ફાવતા." "એમાં ન ફાવવા જેવું શું છે? નીચું જોઇને વાંચવાના ચશ્મા, ઊંચુ જોઇને જોવાના ચશ્મા." "ચશ્મા લેવા પાછા જવું પડે. મને એ વિના સરખું દેખાતું નથી." "બીજી જોડી નથી?" "છે ને, પણ અહીં સાથે ન હોય